એક અહેવાલ મુજબ,શ્રીનગરને હનીમૂન માટે શ્રેષ્ઠ અને ઉત્તમ શહેર માનવામાં આવે છે. હાઉસબોટ અને બરફથી ઢંકાયેલ પર્વતો અહીંની વિશેષતા છે અને ટેકરીઓ દ્વારા વહેતા સરોવરો તે સ્થાનને સુંદરતા આપે છે. વિશ્વના સૌથી સુંદર ડાલ તળાવમાં તરતા ઘરો તમને આકર્ષિત કરશે. તે જ સમયે, નાગિન તળાવ અને ધેલમ નદીની સુંદરતા તમને પાગલ કરશે. તેથી જો તમે ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો પછી આ ભારતની શ્રેષ્ઠ મુલાકાત લેવાની જગ્યાઓ છે – આ સ્થાનો માટે ટિકિટ મેળવો કારણ કે,જો તમે આ સ્થાનોનો આનંદ ન લીધો હોય તો તમે ભારતના સૌથી સુંદર પર્યટન સ્થળની મુલાકાત લેવાથી વંચિત રહી ગયા હશો. આ સિવાય ભારતમાં જોવાલાયક સ્થળો છે. પરંતુ અમે તમને આખા ભારતના શ્રેષ્ઠ પર્યટન સ્થળ વિશે કહ્યું છે, જ્યાં ગયા પછી તમારું મન પાછું નહીં આવે. છાસઠ વર્ષીય સતીશ કૌશિકનું મંગળવાર-બુધવારની વચ્ચેની રાત્રે હૃદયના રોગના હુમલાને કારણે અવસાન થયું હતું. સતીશ કૌશિકના મોત મામલે એક મહિલાએ સનસનીખેજ દાવો કર્યો છે. મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેના પતિએ કથિત રીતે પંદર કરોડ રૂપિયા માટે સતીશ કૌશિકની હત્યા કરી હતી. મહિલાએ દિલ્હી પોલીસ કમિશનરની ઓફિસમાં નોંધાવેલી ફરિયાદમાં આ દાવો કર્યો છે. આરોપ છે કે કૌશિક પૈસા પાછા માંગતા હતા, જે તેના પતિ ચૂકવવા માંગતા ન હતા. તેણીએ આકપેક્સ કર્યો હતો કે, કૌશિકની હત્યા તેના પતિ દ્વારા ગોઠવવામાં આવેલી કેટલીક દવાઓથી કરવામાં આવી હતી. અગાઉ શનિવારે, એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, તેઓએ દિલ્હીના ફાર્મહાઉસમાંથી કેટલીક 'ડ્રગ્સ' મળી આવી છે, જ્યાં છાસઠ વર્ષીય અભિનેતાએ તેમના મૃત્યુ પહેલાં એક પાર્ટીમાં હાજરી આપી હતી. કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું મૃત્યુ થયું હોવાનું કહેવાય છે. મહિલા દ્વારા દાખલ કરાયેલી ફરિયાદની નકલ તપાસ્યા બાદ સમાચાર એજન્સી એ પણ તેની સાથે વાત કરી હતી, જેમણે કહ્યું હતું કે આ એક પૂર્વઆયોજિત હત્યા છે. મહિલાએ દાવો કર્યો હતો કે, તેણે તેર માર્ચ બે હજાર ઓગણીસ ના રોજ બિઝનેસમેન સાથે લગ્ન કર્યા હતા. તેણીનો પરિચય તેના પતિ દ્વારા સતીશ કૌશિક સાથે થયો હતો અને દિવંગત અભિનેતા તેને નિયમિતપણે ભારત અને દુબઈમાં મળતા હતા. તેણે દાવો કર્યો હતો કે, ત્રેવીસ ઓગસ્ટ બે હજાર બાવીસના રોજ કૌશિક દુબઈમાં તેના ઘરે આવ્યા હતા અને તેના પતિ પાસેથી પંદર કરોડ રૂપિયાની માંગણી કરી હતી.